પત્ની: અરે તે સાડીઓ તો આખી સોસાયટીની મહિલાઓ જોઈ ચુકી. પતિ: તો પછી સાડી જ શું લેવી, સોસાયટી જ બદલી નાખીએ છીએ. સંતાએ ઘર બંધાવ્યું ને એય પાછું બે માળનું… એણે ઉપરના માળે રંગ કર્યો… ને પછી નીચેના માળે લખી લીધું… ' ' ઉપર પ્રમાણે… બ્રુસ લી નું પ્રિય શાક? મૂ-લી, નાસ્તો, ઈડ-લી. પ્રિય એક્ટ્રેસ? સોના-લી, પ્રિય પ્રાણી? બિલ-લી, હથિયાર? ગો-લી, ટાઈમપાસ? ખુજ-લી. સરકારી ઓફિસની પરીક્ષામાં એક પાટિયું મારેલું હતું: અહીં અવાજ ના કરવો. કોઈ અટકચાળાએ નીચે એક લીટી ઉમેરી દીધી: નહીતર કદાચ અમે ઊંઘમાંથી ઊઠી જઈએ. એક માણસ પોતાની પત્નીને લીધે ગભાયેલો ડોક્ટરના દવાખાને ગયો અને ડોક્ટરનો હાથ પકડીને એક બાજુ લઇ ગયો, ડોક્ટર: શું થયું??? માણસ: ડોક્ટર સાહેબ, મારી પત્ની મોબાઈલ નું મેમરી કાર્ડ ગળી ગઈ છે, ત્યારથી સતત ગાઈ રહી છે. જલ્દી કાઢી દો. ડોક્ટર: ક્યારથી ગીત ગાઇ રહી છે? માણસ: ગાવાને ગોળી મારો ડોક્ટર સાહેબ, મારી તો એ વિચારીને હાલત ખરાબ થઇ રહી છે કે ઉપર પહોચશે તો શું કરશે??? ખુદી કો કર બુલંદ ઈતના હિ ઈતના કી હિમાલય કી ચોટી પે જા પહોંચે. ઔર ખુદા તુમસે ખુદ પૂછે: બેટા, આ તો ગયા અબ ઊતરેગા કૈસે? કંઈ કેટલીય છોકરીઓ સપનાં જોતી હોય છે કે એક દિવસ એક રાજકુમાર ઘોડા પર સવાર થઈને આવશે…. ખરેખર! હવે પેટ્રોલના ભાવ જોતાં એ સપનું સાકાર થાય એવા દિવસો નજીક આવી રહ્યાં છે… સંતા એ વિમા એજન્ટે ફોર્મ ધર્યું એવું લખ્યું હતું. સંતાએ ફટ દઈને લખી દીધું: હમણાં છાપામાં ટચુકડી એક જાહેરાત આવી કે, "રેતી ના હોય તો સંપર્ક કરો. " એક ભાઈએ ફોન કરીને કીધું કે, હા, મારે બબ્બે મહિને પિયર ચાલી જાય છે!! માંડ ઈ ભાઈને સમજાવ્યું કે એમ રેતી નઈ, મકાન બાંધકામ માં રેતી ના હોય તો સંપર્ક કરો. મમ્મી: દીકરા પાણીપુરી તો નવ થઇ હતી તો તે સાત કેમ કીધી? આવું જૂઠું ન બોલાય છગન: જાવો.. જાવો એ તો હું હતો એટલ નહીં તો તમે તો મારી જગ્યાએ નવ ની પાંચ જ કહેતા મને ખબર કોણ કેટલું ખોટું બોલે છે. ત્યારથી જ ત્યારથી આજે સુધી છગનને પાણીપુરી જોવા નહિ મળી. પોતાનું છોકરું રડે તો આપણા દિલમાં દર્દ થાય અને બીજાનું રડે તો માથાનો દુખાવો થાય. પોતાની પત્ની રડે તો માથું દુખે અને બીજાની પત્ની રડે તો દિલમાં દર્દ થાય. ગજબ ની લીલા છે પ્રભુ ની! અને છૂટાછેડા વાળાઓને ફરી લગ્ન કરવા છે! આમાં કોણ ખુશ છે એજ ખબર પડતી નથી. શાહજહાએ તાજમહેલને અંદર, બહાર ફરીને ધ્યાનથી જોયો.